છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વિવાદોમાં છે. તાજેતરમાં ફિલ્મ પઠાણના ગીતને લઈને વિવાદ થયો હતો. પઠાણ ફિલ્મનું એક ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું, આ ગીત બાદ જ સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. દરેક ઈન્ડસ્ટ્રીના લોકો ટીપ્પણી કરવા લાગ્યા છે, હિન્દુ સમાજનું કહેવું છે કે બેશરમ રંગ ગીતમાં ભગવાનું અપમાન કરવામાં આવ્યું છે. આ પછી હિન્દુ સંગઠન રોષે ભરાયું, દરેક જગ્યાએ બહિષ્કારની માંગ કરવામાં આવી. હવે બોયકોટ ટ્રેન્ડ પર નવો મોડ આવ્યો છે. પીએમ મોદી એ બીજેપી નેતાઓને બોલીવુડનો બહિષ્કાર કરવાની સલાહ આપી છે. તમે જાણો છો કે હજુ પણ પઠાણનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. હિંદુ સમાજ આ ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના નેતાઓને મોટી સલાહ આપી છે. બીજેપી નેતાઓને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું છે કે ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી છે. આ નિવેદનમાં પીએમ મોદીએ ન તો કોઈ નેતાનું નામ લીધું છે કે ન તો ફિલ્મનું,પરંતુ તેમના આ નિવેદનને ફિલ્મ પઠાણ સાથે જોડવામાં આવી રહ્યું છે. જે રીતે તમે જાણો છો કે પઠાણનું ટ્રેલર પહેલા જ લોન્ચ થઈ ગયું હતું. પઠાણ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. પરંતુ થોડા દિવસો પહેલા બુર્જ ખલીફા પર પઠાણનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. શાહરૂખ ખાનના ફેન્સ પઠાણ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વિદેશી દેશો દરેક જગ્યાએથી પ્રેમ આપી રહ્યા છે. પઠાણ ફિલ્મ પર ભાજપના ઘણા મોટા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગ પર વાંધો ઉઠાવ્યો છે. નરોત્તમ મિશ્રા એ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં આવે નહીંતર મધ્યપ્રદેશમાં ફિલ્મને પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં. બિહાર સહિત અન્ય રાજ્યોમાં ફિલ્મ પઠાણના ગીતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. બિહારમાં બીજેપી નેતા હરિ ભૂષણ ઠાકુર બચૌલે તો રાજ્યમાં ફિલ્મ પઠાણની રિલીઝને રોકવાની માંગ પણ કરી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પચીસ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. પઠાણ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.